શ્રીજી કંન્ટ્રકશન' કંપનીએ નવી જગ્યા ઝારખંડમાં ખરીદી, ત્યાં આલિશાન હોટેલ બાંધવાનો પ્રોજેક્ટ શરૂ કરવા, અહીં જે મજુરો હતા એમને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. ત્યાં મજૂરો મળતા નહોતા. રઘુને નવી જગાએ જવાનું મળ્યું, ખુશ હતો. મજૂરી અહીંના કરતા વધારે મળવાની હતી. સવલીને ચિંતા હતી "તત્યાં કેવું હશે?" ઝારખંડ જંગલનો વિસ્તાર, જ્યાં 'માઓવાદી'નો ખૂબ ત્રાસ હતો. એ લોકોને લૂંટી લીધા પછી કાપી નાખતા, ઉઠાવી જતા હતા. આ વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યા પછી બહાર નીકળવામાં જોખમ રહેતું. આવા ખતરાથી રઘુ અને બીજા અજાણ્યા હતા. હોટલની સાઇટ પર બધા આવ્યાં, સવલીએ જોયું, પોલીસના માણસો હતા. એને ખ્યાલ આવી ગયો, અહીં જોખમ છે. ભાષાની એને તકલીફ રહેતી, એટલે સમજી ના શકી શું જોખમ છે અહીં. કામ શરૂ થઇ ગયું. સવલીએ પોતાની બીક રઘુને કહી. "ગાંડી ચ્યમ ડરશ? તારી કને હું છું, સામે પોલીસ છે, તું ચિંતા ના કર" સમય નીકળતો ગયો, બાંધકામ શરૂ થઈ ગયું. સવલીની ચિંતા એક દિવસ સાચી પડી. અચાનક બે જીપોમાં માઓવાદીઓ હાથમાં બંદૂક, શસ્ત્રો લઈ ત્રાટક્યા. સાઇટની ઓફિસમાંથી રોકડ રકમ ઉઠાવી, ઝૂંપડીમાંથી બધા પુરુષોને ખેંચી બહાર કાઢ્યા. ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા. રઘુએ અને બીજા સાથીઓએ વિરોધ કર્યો, એમને ઉઠાવી જતા રહ્યા. સવલી રઘુને બચાવવા દોડી, મદદ માટે બૂમો પાડવા લાગી. કોણ તેની મદદે આવે? ચોકીદાર અને પોલીસને પહેલા જ એ લોકોએ કાપી નાખી મારી નાખ્યા હતા. સવલી અને બીજી સ્ત્રીઓના આક્રંદથી વાતાવરણ ભારે બની ગયું. કોણ કોને સાંત્વના આપે? સવલી હિંમત કરી મનમાં કંઈક નક્કી કરી ઊભી થઈ. "હાલો,આપણે એમને ગોતવા જાશું." "બુન, ક્યાં ગોતીશું?" સવલી મક્કમ અવાજે બોલી, "જીયા એ લોકો ગિયા એ દિશાએ." બધા ભેગા મળીને એ રસ્તે ગયા, જ્યાં જીપ વહી ગઇ હતી. ઘનઘોર જંગલ વિસ્તારમાં પ્રવેશતાં રસ્તામાં ત્રણ પુરૂષોની લાશ મળી. જેમના હાથ-પગ કાપી નાખવામાં આવ્યા હતા, આંખો કાઢી નાખવામાં આવી હતી. આવી બિહામણી લાશોને જોઈ બધાની હિંમત તૂટી પડી. એમાં રઘુ નહતો, સ્ત્રીઓને રડતી મૂકી એકલી આગળ વધતી રહી. થોડે દૂર જતાં એક લાશ પડી હોય એમ લાગ્યું. ધડકતા હૈયે નજીક પહોંચી, રઘુ? ચીસ પાડતાં એ ત્યાં બેભાન થઈ ગઈ. કેટલો સમય બેભાનાવસ્થામાં રહી. પંખીઓના કલરવથી આંખો ખૂલી, સામે રઘુને પણ, હાથ-પગ કાપી નાખવામાં આવેલા હતા. શરીર પર ઘા કરી કાપવામાં આવ્યો હતો. રઘુને ખોળામાં લઈને બેસી રહી, કલ્પાંત કરતી રહી. તેનું રૂદન સાંભળનાર કોઈ નહોતું. આજુબાજુમાંથી લાકડા વીણીને, રઘુને ચિતાએ ચઢાવ્યો. મનમાં એક ગાંઠ વાળી. હિમત કરી, બીજી સ્ત્રીઓ પાસે આવી. એમના ધણીઓને ચિતાએ